તેઓ પ્રેમ અને દિવ્યતાનું પ્રતીક છે. આમ, સફેદ, ગુલાબી, જાંબલી, લીલો અને લાલ જેવા મલ્ટીકલરનું સંયોજન ઘરમાં ગણપતિ પૂંજા માટે એક પરફેક્ટ ડેકોરેશન આઈડિયા બનાવશે. તમે વ્યાવસાયિક ફ્લોરિસ્ટની મદદ મેળવી શકો છો અને મોસમી ફૂલો પસંદ કરી શકો છો જેથી તેઓ તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી શકે અને એક દોષરહિત મંદિર ફ્રેમ બનાવી શકે. ફ્રેમ ઉપરાંત, પરમ પવિત્રતા અને લાવણ્યને પ્રતિબિંબિત કરતી થીમ બનાવવા માટે ગણપતિની મૂર્તિને ચારે બાજુ સમાન ફૂલોના સંયોજનથી ઘેરો. દિવાળી માટે લક્ષ્મી ગણેશને ફૂલ શણગાર. દિવાળીના તહેવાર પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂંજા કરવામાં આવે છે. ધન અને સમૃદ્ધિની દેવી અને જ્ઞાન અને સૌભાગ્યની દેવી પૂંજા કરતી વખતે સુંદર રીતે શણગારવામાં આવે છે. તમે પૂંજા સેટઅપની સામે એક સુંદર રંગોળી ડિઝાઇન કરી શકો છો અને રંગોળીને વધુ સુશોભિત કરવા માટે કેટલાક સુશોભન દીવા મૂકી શકો છો. મૂર્તિઓ અને રંગોળીના ખૂણાઓને સુશોભિત કરવા માટે કાર્યસન્થેમમના ફૂલોનો ઉપયોગ કરો. રોશનીમાં વધારો કરવા માટે પૂંજા સેટઅપની પાછળની દિવાલ પર લેયર ફેરી લાઇટ્સ લગાવો. આકર્ષક સેટિંગ બનાવવા માટે તમે સુંદર સજાવટ સાથે વિવિધ કદના દીવા પસંદ કરી શકો છો. દિયા અને ફૂલોની સજાવટ સાથે લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ. ગણપતિ ફ્લાવર ડેકોરેશન માટે પર્પલના વિવિધ શેડ્સનુંશી મિશ્રણ. જાંબલી શાંતિ, ભક્તિ, રાજવી અને ઉડાતાનો રંગ છે. એવું માનવામાં આવે છે કે રંગ સંપત્તિને આકર્ષે છે. આમ, ગણપતિ માટે બેકડ્રોપ ડિઝાઇન કરવા માટે તે એકદમ યોગ્ય છે. વિવિધ કૃત્રિમ જાંબલી ફૂલોના મિશ્રણનો ઉપયોગ કરો, જેમાં લવંડર, લીલાલ્ક અને મોર્નિંગ ગ્લોરીનો સમાવેશ થાય છે, સમૃદ્ધિ લાવવા અને પ્રેરણાદાયક અને આનંદદાયક વાઇબ્સ ભરવા માટે. દૈવી સેટિંગની સુંદરતામાં વધારો કરવા માટે તમે જાંબલી ફૂલોના બેકડ્રોપને ગ્રીન્સ સાથે ફ્રેમ કરી શકો છો. મનમોહક સેટિંગ માટે ગણપતિ માટે જાંબલી ફૂલોની પૃષ્ઠભૂમિ. લીંબુ પીળા અને લીલા ગણપતિ ફૂલ શણગાર. પીળા ફૂલો સુખ અને આનંદ ફેલાવવા માટે છે અને તેથી ગણપતિ શણગાર માટે શુભ માનવામાં આવે છે. ગણપતિની મૂર્તિ માટે ફ્રેમ ડિઝાઇન કરવા માટે સુંદર કૃતિમ આછા પીળા ફૂલોનો ઉપયોગ કરો. તેમને સફેદ ફૂલો, શુદ્ધતા અને સમૃદ્ધિના પ્રતીક અને રંગીન અને જીવંત સ્પર્શ માટે લીલા પાદડા સાથે સારી રીતે ભળી દો. આસન અને પૂજા સ્ટેન્ડ ઝભ્ભોને સુંદર બનાવવા માટે ફૂલોના સમાન સંયોજનનો ઉપયોગ કરો. તેજસ્વી અસર ઉમેરવા માટે તમે ફૂલોની સાથે સ્ટિંગ લાઇટ પણ લટકાવી શકો છો. ફ્રેમ પર આછા પીળા ફૂલોનું સ્તર, અને પૂંજા એક આકર્ષક લાગણી માટે ઊભી છે. ગણેશ ચતુર્થી પૂંજા માટે વાસ્તુ ટિપ્સ. જ્યારે તમે મંદિર બનાવો છો, ત્યારે હંમેશા યાદ રાખો કે